માટે, વ્યક્તિએ લેટેક્સના ફુગ્ગાઓને હિલીયમ ગેસથી ભરવું જોઈએ અને, તેને સ્ટ્રિંગની મદદથી જમીન પર રાખવાને બદલે, તેમને ઉડવા દો. જ્યારે ફુગ્ગાઓ છત સાથે અથડાશે ત્યારે તેને અમુક સમયે રોકવું પડશે અને ટૂંક સમયમાંછતની સમગ્ર સપાટી ફુગ્ગાઓથી ઢંકાઈ જશે. કોઈ આશ્ચર્ય નથી કેતમારા જન્મદિવસની પાર્ટીના મહેમાનોને આશ્ચર્યચકિત કરવા માટે ખૂબ અસર કરશે. વાતનો ઉલ્લેખકરવો કે બર્થડે બલૂન ડેકોરેશન માટે ઘરે જનારા લોકો માટેવ્યવસ્થા કરવી બહુ મુશ્કેલ નથી. જન્મદિવસના બલૂન ડેકોરેશન તરીકે બલૂન બુકે અને માળા દીવાલો અને ટેબલ ટોપ માટે ગુલદસ્તો અને માળા બનાવવા માટે, લેટેક્સ હોય કે ફોઈલ હોય, ગુબ્બારાને ક્લસ્ટર કરવું તમારા જન્મદિવસની પાર્ટીમાં ચોક્કસ વિશિષ્ટતા ઉમેરશે. બલૂન ગુલદસ્તો અને માળા સાથે અનન્ય જન્મદિવસ બલૂન શણગાર જન્મદિવસ બલૂન સજાવટકેટલાક રંગ સંયોજન વિચારો રંગબેરંગી ફુગ્ગાઓ કોઈપણ પાર્ટીની સજાવટ માટે યોગ્ય ઉમેરો છે, ફુગ્ગા પાર્ટીઓ માટે આદર્શ છે કારણ કે તે કોઈપણ પ્રસંગમાં આનંદ અને રંગ લાવે છે. જન્મદિવસના બલૂન સજાવટ માટે કેટલીક સુંદર અને ખુશખુશાલ રંગ પસંદગીઓ પર એક નજર નાખો. વાદળી અને સફેદજો તમે નાના છોકરા માટે જન્મદિવસની પાર્ટી કરવાનું આયોજન કરી રહ્યા હોવ તો રંગોનુંસંયોજન મુખ્યત્વે શ્રેષ્ઠ અનુરૂપ છે. તે સૂક્ષ્મ છતાં મનોરંજક લાગે છે. ક્રોમ ગોલ્ડ અને સિલ્વરઆ ટ્રેન્ડી કોમ્બિનેશન ખાસ કરીને સિલ્વર અથવા ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી માટે શ્રેષ્ઠ છે. તે તમારી પાર્ટીને યોગ્ય માત્રામાં ચળકાટ અથવા ચમક આપે છે પરંતુ તે વધુ લાઉડ લાગતું નથી. પીળો અને નારંગીતમારા જન્મદિવસની ઉજવણીને ચમકાવવા માટે, જન્મદિવસના બલૂનની સજાવટ માટેરંગ સંયોજનનો પ્રયાસ કરો. તે કોઈપણ તટસ્થ જગ્યાને સૌથી આનંદદાયક બનાવી શકે છે. ગુલાબી અને સફેદઆ ક્લાસિક સફેદ અને બેબી પિંક કલરના જન્મદિવસના બલૂનની સજાવટ રમતિયાળ ટોન સેટ કરવા માટે આદર્શ છે અને કોઈપણ જગ્યામાં ભવ્ય લાગે છે. અમે આશા રાખીએ છીએ કે તમે તમારી આગામી ઘરની પાર્ટી માટે આમાંના કેટલાક જન્મદિવસના બલૂન સજાવટના વિચારોનો ઉપયોગ કરશો. અમને ખાતરી છે કે તમારા મહેમાનો ફ્લોર પર આવશે. હેપી બલૂન સુશોભિત! વાસ્તુ અનુસાર સજાવટમાં ઉપયોગ કરવા માટેના રંગોના પ્રકાર રસપ્રદ ઘર સજાવટ વિચારો બેકયાર્ડ્સ માટે આઉટડોર અને પેશિયો સજાવટ વેડિંગ સ્ટેજ ડેકોરેશન આઈડિયાઝ તમારા ઘર માટે લૉન સજાવટ વાસ્તુ અનુસાર ઘર સજાવટની વસ્તુઓ+.. છબીઓ સાથે નવીન નાના ઘર ડિઝાઇન વિચારો તમારા નાનકડા ઘરમાં તંગી લાગે છે? શું એવું લાગે છે કે તમારી પાસે પૂરતી જગ્યા નથી? સારું, અમારી પાસે કેટલાક ઉત્તમ નાના ઘર ડિઝાઇન વિચારો છે જે તમારા ઘરને મોકળાશવાળું અને આરામદાયક બનાવી શકે છે. મોટા, વિશાળ ઘરો આજે લક્ઝરી છે અને દરેક જણ એટલા નસીબદાર નથી કે